' 'તમારી પાસે છે એટલું વિટામિન તો વાપરો! – પછી ખૂટે તો વિચારજો. ' ખપની શક્તિ કરતાં વધારે શક્તિ શરીરમાં ઉત્પન્ન થાય તો તેમાંથી વિકાર જન્મે. આ બહુ સમજવા જેવી વાત છે. એટલે જેટલું કામ કરવાનું હોય એટલી જ શક્તિ ઉત્પન્ન કરવી જોઈએ. એમણે નાટક ખુબ આનંદથી માણ્યું. નાટક પૂરું થયા પછી એમણે કલાકાર વિદ્યાર્થીઓને મળવા બોલાવ્યા. વિદ્યાર્થીઓ મહારાજાના ચરણ સ્પર્શ કરવા લાગ્યા તો એમણે કહ્યું, "અરે અરે આમ નહિ. હું તો ગવર્નરને અને ડોક્ટરને મળવા માગું છું. " આમ કહી એમણે ગવર્નરને સલામ કરી અને ડોક્ટર સાથે હાથ મિલાવ્યા. મહારાજા સાહેબે આવું કર્યું એ વાત આ કલાકાર વિદ્યાર્થીઓ માની જ નહોતા શકતા. આ કલાકારોમાં ગવર્નર બનેલ વિદ્યાર્થી જનાર્દન અંજારિયા એ મારા પિતાશ્રી! આ અંગ્રેજી નાટક ભજવવા મહેનત કરનાર શિક્ષકોમાં એક વિષ્ણુપ્રસાદ અંજારિયા એ મારા પૂજ્ય દાદા! એક વાર મહારાજા સાહેબ એમની મોટરમાં બેસીને રાજ્યની સ્થિતિ જાણવા નીકળ્યા હતા. એમણે કેટલાક વિદ્યાર્થીઓને ભાવનગરના સુંદરબાગમાં બેઠેલા જોયા. એમણે ત્યાં જઈને એમના ખબર અંતર પૂછ્યા તો જાણ્યું કે આ વિદ્યાર્થીઓ શામળદાસ કોલેજમાં ભણતા હતા અને પીકનીક માટે આવ્યા હતા. અત્યારે તેઓ થોડો નાસ્તો કરવાના હતા. મહારાજા સાહેબે એમને પૂછ્યું કે નાસ્તા સાથે ચાનું શું? વિદ્યાર્થીઓએ કહ્યું કે ચાની સગવડ તો નથી. મહારાજ સાહેબે કહ્યું કે, "ચા વગર નાસ્તાની શી મજા? " તેઓ પછી એમની મોટરમાં નીકળી ગયા. થોડા સમય બાદ એમની મોટર સુંદરબાગમાં આવી. એમના માણસો એક જગમાં ગરમા ગરમ ચા લઇ આવ્યા હતા! કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓની પીકનીક માટે પણ રાજ્યના મહારાજાએ આટલી બધી દરકાર રાખી! રાજકુમાર શ્રી. વીરભદ્રસિંહજી જયારે કોલેજમાં આવ્યા ત્યારે મહારાજા શ્રી. કૃષ્ણકુમારસિંહજીએ એમને અન્ય વિદ્યાર્થીઓ સાથે શામળદાસ કોલેજમાં જ ભણવા મોકલ્યા. એટલું જ નહિ પરંતુ એમને પણ બીજા વિદ્યાર્થીઓ સાથે જ બેસીને ભણવા કહ્યું.